પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે જોતજોતામાં પવન સાથે વરસાદનું જોર વધતું ગયું હતું વેંકયા નાયડુએ જણાવ્યું છે કે યોગ વ્યક્તિની શારિરીક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે સમગ્ર જિલ્લામાં બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેમણે કહ્યું કે યોગ એકતાની શક્તિ સ્વરૂપે બહાર આવ્યું છે આ એક વિજ્ઞાન છે જે શાંતિ અને સુમેળ પર ભાર મૂકે છે યોગ કોઇનાથી ભેદભાવ નથી કરતો અને રંગ સ્ત્રીપુરુષ ધર્મ અને દેશની વિભિન્નતાના તમામ અંતરોથી ઉપર છે જેથી લોકોને ઉકળાટથી રાહત મળી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ કરીશું કોરોનાને હરાવીશું અભિયાનને સાડા છ કરોડ ગુજરાતીઓએ પ્રતિસાદ આપ્યો છે તે માટે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ યોગ અભિયાન એ ખરા અર્થમાં જન અભિયાન બની ગયું છે આ ઉપરાંત તેમણે માય લાઇફ માય યોગ વિડીયો બ્લોગિંગ સ્પર્ધામાં પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો મળતી માહિતી મુજબ સુરત પોરબંદર દેવભૂમિ દ્વારકા કચ્છ અને રાજકોટ સહિત અનેક વિસ્તારમાં હળવાશથી મધ્યમ વરસાદ નોંધાયો છે દ્વારકા જિલ્લાના મેઘપર ટીટોડી ગામે ચાર ચાર ઇંચ વરસાદ થતા ચોમેર પાણી ફરી વળ્યા હતાં તો એક સો એકત્રીસ લોકો સ્વસ્થ થતાં તેઓને રજા આપી દેવાઈ છે તો પારનેરા ગામે આવેલાં શિવ પેલેસ અને ભોલાનગર ફ્લેટના હદ વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે વીસ આઠ નોંધનીય છે કે ગત એક માસથી કચ્છના દરિયાકિનારેથી બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો અવિરત પણે ચાલી રહ્યો છે ભારે વરસાદને કારણે મેઘપર ટીટોડીની નદીમાં પુર આવતા નદી બંને કાંઠે વહી રહી છે એક સો બાવન લોકોને રજા આપવામાં આવી છે તેમણે કહ્યું કે પરિવારના સભ્યોની સાથે યોગ કરવાથી પૂરી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે યોગ દિવસ આયોજનની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશ સાથે શરૂ થઇ રાણાવાવમાં પાંચ તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરાયેલી થીમ યોગ એટ હોમ યોગ વીથ ફેમીલી ને અનુલક્ષીને વિવિધ યોગાસનોના વીડીયો પણ અપલોડ કર્યા હતા તદનુસાર મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ પણ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનના પ્રાંગણમાં શ્રીમતી અંજલિબહેન રૂપાણી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજી સાથે સવારે યોગાસન અને પ્રાણાયામ કર્યા હતા ત્યારે યોગથી તન મન અને ચિત્ત સ્વસ્થ રહે છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો જિલ્લામાં અત્યાર સુધી કોરોના કારણે કુલ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે આ અંગે અમારા અમદાવાદના સંવાદદાતા યોગેશ પંડ્યાનો વિશેષ અહેવાલ સાંભળીયે મુખ્યમંત્રી યોગ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે સવારે યોગ પ્રાણાયમ કરીને દિવસનો પ્રારંભ કર્યો હતો જામનગરમાં પણ આજે ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે વીસ ત્રણ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે આયુષ મંત્રાલયે યોગ એટ હોમ યોગ વિથ ફેમીલી થીમ સાથે દેશ ભરમાં આ યોગ દિવસ ઉજવવાનું આયોજન કરેલું છે શ્રી મોદીએ કહ્યું કે યોગ ધરતીને સ્વસ્થ અને સુરક્ષિત સ્થળ બનાવવાની દિશામાં સશક્ત પ્રયાસ છે એકાવન લોકો સારવાર હેઠળ છે।